કાઉન્ટર પર બેંક નોટો અસલી છે કે નકલી તે મશીન દ્વારા ચેક કરવામાં આવશે. જો બેંક દ્વારા કોઈ નોટ નકલી હોવાનું જાણવા મળે છે, તો ગ્રાહકને તે પરત કે રિફંડ આપવામાં આવશે નહીં. નકલી તરીકે નિર્ધારિત થયેલી ચલણી નોટ પર "નકલી નોટ" તરીકેનું સ્ટેમ્પ કરવામાં આવશે અને તેને જપ્ત કરવામાં આવશે. જપ્ત કરાયેલી દરેક નોટની વિગતો અલગ રજીસ્ટરમાં નોંધવામાં આવશે. નકલી નોટો બેંક બ્રાન્ચ દ્વારા ન તો પરત કરવામાં આવશે અને ન તો તેનો નાશ કરવામાં આવશે. તેને નકલી નોટો જપ્ત કરવામાં બેંકોની નિષ્ફળતા માનવામાં આવશે અને સાથે જ તેને સર્ક્યુલેટ કરવામાં સંબંધિત બેંકની ઇરાદાપૂર્વકની સંડોવણી તરીકે ગણવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે. જ્યારે કોઈ બેંક નોટ કાઉન્ટર પર જમા કરવામાં અથવા બદલાતી વખતે નકલી હોવાનું જણાય છે, ત્યારે બેંક શાખા દ્વારા ટેન્ડરે નિર્ધારિત ફોર્મેટમાં એક સ્વીકૃતિ જારી કરવી જોઈએ. માર્ગદર્શિકા એ પણ સ્પષ્ટતા કરે છે કે નકલી નોટો શોધવા માટે પોલીસને કેવી રીતે જાણ કરવી જોઈએ. માર્ગદર્શિકામાં નકલી નોટોના પરિભ્રમણમાં સામેલ વ્યક્તિઓની ઓળખને સરળ બનાવવા માટે, બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ બેંક પરિસર અને કાઉન્ટર્સને સીસીટીવી દેખરેખ હેઠળ રાખે અને તેમની આંતરિક નીતિ મુજબ રેકોર્ડિંગને સુરક્ષિત રાખે. શું રૂપિયાની નોટ હવે લીગલ ટેન્ડર રહેશે નહીં? એ કહ્યું છે કે રૂપિયાની નોટ તેનો લીગલ ટેન્ડરનો દરજ્જો જાળવી રાખશે. લોકો તેમના નાણાંકીય વ્યવહાર માટે રૂપિયાની નોટોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે અને તેમને ચુકવણીમાં પણ પ્રાપ્ત કરી શકે છે. જો કે, તેમને ત્રીસ સપ્ટેમ્બર, બેહજાર ત્રેવીસના રોજ સુધીમાં અથવા તેની પહેલાં આ બેંક નોટો જમા કરવા અને બદલાવવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. આરબીઆઇ એ બે હજાર ની નોટ કેમ બંધ કરી, કેવી રીતે બદલવી, હવે તેમનું શું થશે. શું બે હજાર સોળ ની નોટબંધી જેવી અરાજકતા ફેલાશે? ઉલ્લેખનિય છે કે, રિઝર્વ બેંકે ત્રીસ સપ્ટેમ્બર પછી આ નોટોના લીગલ ટેન્ડર દરજ્જા અંગે સ્થિતિ સ્પષ્ટ કરી નથી. જો કે, તેણે કહ્યું છે કે રૂપિયાની નોટો અંગે તેના નિર્દેશો તે તારીખ સુધી અમલમાં રહેશે. ગુજરાતમાં વેદાંત લિમિટેડ વિદેશની ફોક્સકોન કંપનીની સાથે મળીને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ સ્થાપી રહી છે. જે ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચર્સ પ્લાન્ટ છે અને હાલ "વેલ્યૂશનના એડવાન્સ તબક્કામાં" છે, એવું ગુજરાત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે. કેન્દ્ર સરકાર રૂપિયા એક પોઈંટ ચોપન લાખ કરોડના ખર્ચે સ્થાપવામાં આવેલા પ્રોજેક્ટનું વિગતવાર ટેકનિકલ અને નાણાકીય મૂલ્યાંકન કરી રહી છે, એવું અધિકારીએ ઉમેર્યું હતું.